લાલુએ કહ્યું કે રાહુલે લોકસભામાં અદાણીનો મુદ્દો ઉઠાવીને સારું કામ કર્યું. લાલુ પ્રસાદ યાદવે પોતાની જૂની સ્ટાઈલમાં કેટલીક રમુજી વાતો પણ કહી. તેમણે રાહુલ ગાંધીને જલ્દી લગ્ન કરવાની સલાહ પણ આપી. તેમણે એવું પણ કહ્યું કે જો તેઓ લગ્ન કરશે તો તેના જાનૈયાઓ તમામ પક્ષોના નેતાઓ હશે. આમ તો વિપક્ષની બેઠક બાદ રાહુલ ગાંધીએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે ભાજપ સામેની આ રાજકીય લડાઈને વિચારધારા સાથે જોડી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભાજપ અને સંઘ દેશના પાયા પર પ્રહારો કરી રહ્યા છે, તેને રોકવા જરૂરી છે. અખિલેશ યાદવ, શરદ પવાર, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીએ પણ બેઠકમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. બધાએ વિપક્ષ એકતા વિશે વાત કરી અને સ્પષ્ટતા કરી કે સંયુક્ત કાર્યક્રમ હેઠળ આગળની રણનીતિ ઘડવામાં આવશે. મહાગઠબંધનની આગામી બેઠક શિમાલામાં યોજાશે પટનામાં વિપક્ષના મહાગઠબંધનની બેઠક સમાપ્ત થઇ ગઇ છે. હવે વિપક્ષ એકતાની આગામી બેઠક બાર જુલાઇ,બે હજાર ત્રેવીસ ના રોજ શિમલામાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ વિપક્ષો ફરી મળશે અને ભાજપનને આગામી લોકસભા ચૂંટણીમાં હરાવવાની રણનીતિ તૈયાર કરશે તેવી શક્યતા છે. કોંગ્રેસ ટ્રેન્ડિંગ ન્યૂઝ બિહા રભાજપ રાજકારણ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી. મહાગઠબંધન બેઠક પૂર્ણ, લોકસભા ચૂંટણી માટે એક સાથે ભાજપ સામે લડવાનો હૂંકાર. આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષોએ એક થઇ ભાજપ સરકારને દૂર કરવા માટે હૂંકાર ભર્યો હતો. મહાગઠબંધન બેઠક બાદ વિવિધ પક્ષોના નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પટનામાં વિપક્ષી એકતાની આ બેઠકમાં કોંગ્રેસ, એનસીપી, જેડીયુ અને ડીએમકે સહિત કુલ પંદર પાર્ટીઓના નેતા સામેલ રહ્યા હતા લોકસભા ચૂંટણી મેદાને જંગ માટે મહાગઠબંધન રૂપે દેશભરના વિપક્ષોએ ભાજપ સામે મોરચો શરૂ કર્યો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની યજમાનીમાં પટના ખાતે શુક્રવારે વિપક્ષ દળની મહાગઠબંધન બેઠક મળી હતી. જેમાં કેન્દ્રની ભાજપ સરકાર અને મોદી સામે ટક્કર આપવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષોએ એક થઇ ભાજપ સરકારને દૂર કરવા માટે હૂંકાર ભર્યો હતો. મહાગઠબંધન બેઠક બાદ વિવિધ પક્ષોના નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરી હતી અને આગામી ચૂંટણીમાં વિપક્ષી દળોની એકતા દેખાશે એવો સૂર વ્યક્ત કર્યો હતો. ઉમર અબ્દુલા આ વિચારધારાની લડાઇ છે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ કહ્યું કે કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી પાર્ટીઓએ આ મિટિંગમાં ભાગ લીધો. આ વિચારધારાની લડાઇ છે. અમે એક થયા છીએ દેશને બરબાદીથી બચાવવા માટે, લોકતંત્રને જીવિત રાખવા માટે. હું અને મહેબુબા મુફ્તી આ દેશના તે બદનસીબ વિસ્તારથી સંબંધ રાખીએ છીએ જ્યાં લોકતંત્ર ખતમ કરવામાં આવી રહ્યું છે. ગાંધીના દેશને ગોડસેનો દેશ નહીં બનવા દઇએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું કે ગાંધીના આ દેશને ગોડ્સેનો દેશ બનવા દઇશું નહીં.